આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના વિકાસલક્ષી અભિગમના કારણે આ શક્ય બન્યું છે અને મોરિશિયસની જનતાને તેનો લાભ મળશે.ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં શરૂ કરાયેલા ડેશબોર્ડ પ્રસંગે તેમણે કહ્યું કે શિક્ષિત ,જાગૃત અને સંતોષી નાગરિકો ગાંધી વિચારધારાનું પ્રતિક છે. શ્રી મોદીએ કહ્યું કે મેટ્રો દ્વારા કરકસરપૂર્ણ અને સમયસરની પરિવહન વ્યવસ્થા ઉભી થશે અને તે આર્થિક બાબતો તથા પ્રવાસનને મદદરૂપ બનશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરેક દિવસોએ ચાલશે .તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પર્યાવરણીય ન્યાયનો દ્રષ્ટિકોણ ગાંધી વિચારધારાને આધીન છે અને તે સાતત્યપૂર્ણ વિકાસ સૂચવે છે. રાજ્ય સરકારે આ અરજીમાં ચેન્નાઇ વિમાન મથકથી મહાબલિપુરમ સુધીના સાઈઠ કિલોમીટરના માર્ગ પર બેનર લગાવવા રજુઆત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિણ જગન્નાથે આજે વીડીયો કોન્ફરન્સ મારફતે મોરિશિયસના બે પ્રોજેક્ટ ખુલ્લા મુક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અગ્રણી નેતાઓએ ઉમેદવારીપત્રો ભર્યા .હરિયાણામાં કોંગ્રેસે છ ઉમેદવારની જાહેરાત કરી વેબ સાઇટ પરથી મેળવી શકાશે આ પ્રસંગે તેમણે ડીજીટલ ચક્રનું વિમોચન કર્યું હતું. તેમાં મેટ્રો એકસપ્રેસનો પ્રથમ તબક્કો અને કાનનાકગળાની નવી હોસ્પિટલની શરૂઆત કરી છે. હોસ્પિટલ આરોગ્યની કાળજી માટે મહત્વપૂર્ણ રહેશે. મોરિશિયસના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ માટે ભારતના આભારી છીએ. નવી દિલ્હી-કતરા વંદે ભારતએક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે છ વાગે ઉપડશે અને કટરા બપોરે બે વાગે પહોંચશે આ દરમિયાન ટ્રેન અંબાલા કેમ્પ, લુધિયાણા અને જમ્મુતાવી બબ્બે દરેક જગ્યાએ થોભશે. તેમણે કહ્યું કે ભારત અને મોરિશિયસમાં ગતિશીલ લોકશાહી વ્યવસ્થા દ્વારા લોકોની સમૃધ્ધિ માટે પ્રયત્નશીલ છે .ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર પૃથ્વીરાજ ચૌહાણે કરાડ દક્ષિણ બેઠક પરથી અને અમિત દેશમુખ તથા ધીરજ દેશમુખે લાતુરની બે બેઠક પર ઉમેદવારી નોંધાવી છે .તેમણે ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા સહિત વિવિધ રાજકીય નેતાઓના પરના પ્રતિબંધો ઉઠાવી લેવાની માંગણી કરી છે.હર્ષવર્ધન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા .હરેશ પંડયા નવીન જમ્મુકાશ્મીર પ્રદેશ ભાજપે રાજ્યમાં ત્રાસવાદને પ્રોત્સાહનમાં કોંગ્રેસની ભૂમિકા તપાસવા માંગણી કરી છે .ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે સશક્તિકરણ માટે સત્તાના ગાંધીજીના વિચારો આજે પણ પ્રસ્તુત છે અને તે પરિવર્તન માટે મહત્વના છે .નાલા સોપારામાંથી ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદિપ શર્માએ શિવસેનાના ઉમેદવાર તરીકે ઝુકાવ્યું છે. રજુઆતના આધારે આ નિર્ણય કર્યો છે મહારાષ્ટ્ર વિધાનસભાની એકવીસ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરાવા લાગ્યાં છે .મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પૂણેની કોથરડ બેઠક પરથી અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મુંબઇમાં વરલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે .ભારત અને મોરિશિયસ દ્વારા સંયુક્ત રૂપે મેટ્રો એક્સપ્રેસ અને કાનનાકગળાની હોસ્પિટલનો મોરિશિયસમાં આરંભ પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી પ્રોજેક્ટ શરૂ કરતાં તેને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિક ગણાવ્યું.